માછલીઘર રાખતી વખતે, તેને બેડરૂમમાંમૂકવાનો પ્રયાસ કરો. એક્વેરિયમમાં ફેંગ શુઇ માછલી પર ઝડપી ટિપ્સ ઘરમાં માછલીઘર રાખવુંઘરમાં પાણીની ઊર્જાને આમંત્રણ આપવા જેવું છે. તેથી તમારે ખાતરી કરવી જોઈએ કે તે તમારા ઘર માટે ફાયદાકારક છે. અહીં ફેંગ શુઇ માછલી વિશેની કેટલીક ટીપ્સ છે જે તમારે અનુસરવી જોઈએહંમેશા ખાતરી કરો કે તમે માછલીઘરને સ્વચ્છ રાખો છો. ઉપરાંત, માછલીઘરની અંદરની માછલીઓને સ્વસ્થ રાખવી જોઈએ. તમારા ઘર માટે માછલીઘરનું યોગ્ય કદ પસંદ કરો. જો શક્ય હોય તો, નવ માછલી રાખવાનો પ્રયાસ કરો, જે એક શુભ અંક માનવામાં આવે છે. તમારા માછલીઘરમાં માત્ર એકપ્રકારની માછલી રાખવાનો પ્રયાસ કરો કારણ કે કેટલીકવાર માછલીઓ અન્ય પ્રકારની માછલીઓ સાથે સુસંગત હોતી નથી. તમારા માછલીઘરમાં પાંચ તત્વો રાખવાનો પ્રયાસ કરો. જો તમારા માછલીઘરમાં માછલી મરી જાય, તો કૃતજ્ઞતા અર્પણ કરીને કોઈ પવિત્ર વિધિ સાથે તેનો નિકાલ કરો. ઉપરાંત, ખાતરી કરો કે તમે તમારી ટાંકીમાં માછલીઓની સંખ્યા જાળવી રાખવા માટે મૃત માછલીને બદલો છો. ફેંગ શુઇ મુજબ, ગોલ્ડફિશ શુભ છે કારણ કે તે સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે. એક્વેરિયમની જાળવણી ઘરમાં માછલીઘરની જાળવણી માટે નીચેની બાબતો જરૂરી છે. તેને સાફ રાખો ઓક્સિજનયુક્ત પાણીનું પરિભ્રમણ કરો માછલીઘરનું વાતાવરણ રસપ્રદ રાખો પાંચ તત્વોનું સંતુલન હોવું જોઈએ સારાંશફેંગ શુઇ માછલીના પ્રકાર શું તમે ફેંગ શુઇ માછલીની આવી અદ્ભુત જાતો જોઈને પહેલેથીઆકર્ષિત છો? તેથી, વિલંબ કરશો નહીં અને નાના નાના મિત્રોને તમારા ઘરે લાવો અને તમારા પરિવાર માટે અવિશ્વસનીય સમૃદ્ધિ અને નસીબ લાવો. સુંદર નાનકડા જીવોને ઘરે લાવવાથી ફેંગશુઈ અનુસાર ઘર માટે માત્ર તમને નસીબનહીં મળે પરંતુ તમારા ઘરની અંદરની વસ્તુઓને પણ સુંદર બનાવશે. ફેંગ શુઇ પર વધુ સંપત્તિ માટે ફેંગ શુઇ મની પ્લાન્ટ માટે ફેંગ શુઇ બાથરૂમમાં અરીસાઓ માટે ફેંગ શુઇ બેડરૂમ માટે ફેંગ શુઇ રંગો સારા નસીબ માટે ફેંગ શુઇ ફેંગ શુઇ મિરર લિવિંગ રૂમ ઘર ખરીદવા માટે ફેંગ શુઇ ફેંગ શુઇ રિંગ્સ ફેંગ શુઇ મિરર પ્લેસમેન્ટ માટેની ટિપ્સ+.. તમારા ઘરને પરફેક્ટ એક્સટીરિયર આપવા માટે બાલ્કની વોલ આઈડિયાઝ બાલ્કની દિવાલના વિચારો શોધો જે તમને અલગ અલગ રીતે આપે છે જેમાં તમે તમારી વ્યક્તિગત શૈલી અને સ્વાદને પ્રતિબિંબિત કરવા માટે તમારા ઘરમાં બાલ્કનીની દિવાલોને સજાવટ કરી શકો છો. કોઈપણ ઘરની બાલ્કનીનું પોતાનું એક આકર્ષણ હોય છે. તે જગ્યા છે જ્યાં તમે તમારા સવારના કપા સાથે જાઓ છો અથવા તમારી શાંત સાંજ આરામથી પસાર કરો છો. તેથી, એવું કોઈ કારણ નથી કે તમારા ઘરનાભાગને તેટલા પ્રેમથી શણગારવામાંઆવે જેટલો તમે બાકીના ઘર માટે કરો છો. બાલ્કનીની દિવાલની ડિઝાઇન